પીળો, લાલ, લીલો, રોયલ બ્લુ વગેરે, કોઈપણ પ્રકારની રંગીન કેબિનેટ્સ સફેદ દિવાલો સાથે ખૂબ સારી રીતે જશે. રસોડાના રંગના વિચારોમાં માત્ર દિવાલોનો સમાવેશ થતો નથી. દિવાલોના રંગને કેબિનેટ સાથે સુમેળમાં રાખો. કોરલ રંગનું રસોડું. કોરલ લાલ જેટલો તેજસ્વી નથી અને ગુલાબી કોરલ જેટલો આછો નથી. તે બહુમુખી રંગ છે. તે સ્ત્રીની રંગમાં વધુ છે તેથી સમીકરણને સંતુલિત કરવા માટે તેની સાથે લાકડાના ફર્નિચરની જોડી બનાવો. તેનો ન્યૂનતમ છાંયો તમારા રસોડામાં વોલ્યુમ ઉમેરે છે, તેને સુઘડ બનાવે છે. તેને પૂરક બનાવવા માટે પેન્ડન્ટ લાઇટ્સ ઓવરહેડ અને કેબિનેટ્સ હેઠળ ફોકસ લાઇટ્સ ઉમેરો. એકંદરે તે તમારા માટે એક સુંદર આધુનિક દૃશ્ય બનાવશે. કોરલ આધુનિક રસોડા માટે એક મહાન રંગ છે. જાંબલી. જાંબલી રંગના રસોડા અત્યંત આમંત્રિત અને ભૂખ ઉત્તેજિત કરવા માટે જાણીતા છે. જાંબુડિયા રંગના અસંખ્ય રંગ છે, જેમ કે લવંડર, લીલાક વગેરે. તમારી અનુકૂળતા મુજબ એક પસંદ કરો અને રંગની રોયલ્ટીનો આનંદ લો. તે તમને શરૂઆતમાં વિચિત્ર લાગશે, પરંતુ રસોડું તૈયાર થઈ ગયા પછી, તમને તે ગમશે. હળવા રંગછટા સાથે જાંબલી કેબિનેટના ઊંડા શેડ્સ અને તેનાથી વિપરીત જોડી બનાવો. તમે તેની સાથે ટીલ અથવા ગ્રે ફર્નિચરનો પણ ઉપયોગ કરી શકો છો. આકર્ષક જાંબલી રંગનું રસોડું. રંગબેરંગી ઓપનિંગ્સ. તમારા દરવાજા અને બારીઓ માત્ર અસ્તિત્વમાં છે તેના કરતાં વધુ ભૂમિકા ભજવી શકે છે. સાદી સફેદ દિવાલો સાથે રંગબેરંગી ઉદઘાટન એકબીજાને ખૂબ સારી રીતે ખુશ કરે છે. ગ્રીસના સેન્ટોરિનીના ઘરો વિશે વિચારો. શું તેઓ માત્ર ભવ્ય કરતાં વધુ દેખાતા નથી? રસોડાના દરવાજા અને બારીઓને તેજસ્વી રંગોથી રંગીને તમારા રસોડામાં સમાન રંગ ઉમેરો. તે સુંદર અને ઘણું સસ્તું છે. ઓપનિંગ્સ દેખાવ પણ બદલી શકે છે. ટેક્ષ્ચર ટાઇલ્સ. વાઇબ્રન્ટ બોહેમિયન દેખાવ બનાવવા માટે ટેક્ષ્ચર ટાઇલ્સ સરસ કામ કરે છે. પરિવર્તન લાવવા માટે તમારે તમારી દિવાલોને ફરીથી રંગવાની જરૂર નથી. દિવાલો પર ટાઇલ્સ ઠીક કરો, અને તમારી સમસ્યા હલ થઈ જશે. તે ઓછા ખર્ચાળ અને ઓછા જાળવણી બંને છે. ત્યાં ઘણી બધી પેટર્ન ઉપલબ્ધ છે. તમારી પસંદગી મુજબ પસંદ કરો અને બોહો કિચનનો આનંદ લો. લાકડાનું અને સ્ટેનલેસ સ્ટીલનું ફર્નિચર આ દેખાવ સાથે શ્રેષ્ઠ જાય છે. તમારા રસોડામાં બોહેમિયન સ્પર્શ ઉમેરો. લાઇટિંગમાં પ્રકાશ પાડવાની શક્તિ છે. કોઈપણ રૂમ અને કોઈપણ સ્થળની સુંદરતા વધારવામાં લાઇટ્સ મોટી ભૂમિકા ભજવે છે. તમારે ફક્ત યોગ્ય પસંદ કરવાનું છે. જો તમે તમારા રસોડામાં કલરિંગ અને ફર્નિશિંગનો ખર્ચ ઉઠાવી શકતા નથી, તો તે એકદમ સમજી શકાય તેવું છે. પરંતુ તેનો અર્થ નથી કે તમારે સુંદર રસોડાનો વિચાર છોડવો પડશે. લાઇટિંગ તમારી રમત બદલી શકે છે. સોનેરી, નિયોન અને સફેદ ડિમેબલ લાઇટ્સ તમારા રસોડાને આધુનિક અને આકર્ષક દેખાવ આપી શકે છે.